નાના ઘરની ડિઝાઇન માટે અહીં કેટલાક કરવા અનેકરવાનાં વિચારો છે. કરોનાની જગ્યાના ફર્નિચરનો ઉપયોગ કરો. લવ સીટ, સોફા કમ બેડ, પાર્સન ચેર, એન્ડ ટેબલ અને વધુ વિચારો. આવુંકરોતમારા બધા ફર્નિચરને દિવાલની નજીક મૂકો. ઊંડાઈનો ભ્રમ બનાવે છે અને તમારી જગ્યા વિશાળ લાગે છે. કરોખુલ્લા છાજલીઓને તક આપો. છાજલીઓ પરના દરવાજા તેમની સાથે ભારેપણું જોડાયેલા છે. ખુલ્લી છાજલીઓ તમારી જગ્યાને મોટી બનાવી શકે છે. કરોતમારા પલંગ પરના હેડબોર્ડને અવગણો. તેઓ થોડી જગ્યા લે છે અને જ્યારે નાના ઘરના ડિઝાઇન વિચારોની વાત આવે છે ત્યારે તેમની ઊભી ડિઝાઇન તમારા રૂમને વિશાળ બનાવે છે. કરોબહુવિધ પ્રકાશ સ્ત્રોતો ધરાવો. તમારા ઘરમાં ઘણાં વિવિધ પ્રકાશ વિકલ્પો રાખવાથી કોઈપણ પડછાયાને દૂર કરવામાં અને તમારા રૂમમાં એકંદર તેજ લાવવામાં મદદ મળશે, જગ્યાનો ભ્રમ પેદા થશે. કરોતમારી વિન્ડો ઓવર ડૂ. તમારી વિન્ડોઝને ઓવર ડ્રેસિંગ કરવાથી તેમાં બલ્ક ઉમેરાશે અને તમારી જગ્યા કંગાળ લાગશે. સરળ ડ્રેપ્સ અથવા પેનલ્સ માટે જાઓ જે તમારા રૂમમાં ખૂબઅવ્યવસ્થિત રીતે નરમ સ્પર્શ ઉમેરે છે. તમારા નાના ઘરની ડિઝાઇનને સ્વચ્છ અને વ્યવસ્થિત કેવી રીતે રાખવી? ઉપરોક્ત નાના ઘર ડિઝાઇન વિચારોનો ઉપયોગ કરવા ઉપરાંત, અમે તમારી જગ્યાને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની ભલામણ કરીએ છીએ. નહિંતર, અવ્યવસ્થિત તમારી નાની જગ્યાને ગીચ દેખાડી શકે છે. આમ, તેનાથી બચવું જોઈએ. કોઈપણ વસ્તુ જે હવે ઉપયોગી નથી તેને દૂર કરવી જોઈએ. તેવીરીતે, પ્રસંગોપાત ઉપયોગમાં લેવાતી કોઈપણ વસ્તુને પેક કરીને સંગ્રહિત કરવી જોઈએ. જ્યારે તમારી ખુરશીઓ અને અન્ય ફોલ્ડ કરી શકાય તેવા ફર્નિચરના ટુકડા ઉપયોગમાંહોય ત્યારે તેને ફોલ્ડ કરવાનો પણ સારો વિચાર છે. જગ્યાને સ્વચ્છ અને જગ્યા ધરાવતી દેખાશે. સ્થળને જીવંત બનાવવા માટે તમે વ્યૂહાત્મક રીતે ઘરમાં નાના પ્લાન્ટર્સ પણ મૂકી શકો છો. નાના ઘરની ડિઝાઇન માટે વાસ્તુ ટિપ્સ ઘરને સ્વચ્છ રાખવા ઉપરાંત, તે તમને વાસ્તુ અનુસાર વિવિધ ફર્નિચર વસ્તુઓની પ્લેસમેન્ટ સમજવામાં મદદ કરશે. વાસ્તુ ટીપ્સનો ઉપયોગ કરીને, તમે તમારી બધી વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. દાખલા તરીકે, ટેલિવિઝનને ઉત્તરમાં અને ફ્રીજને એવી રીતે રાખો કે તે પૂર્વ તરફ ખુલે. સ્ટડી ટેબલ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ. મુખ્ય દરવાજો ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવો જોઈએ, જ્યારે રસોડું દક્ષિણ-પૂર્વમાં હોવું જોઈએ. શયનખંડ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. નાના ઘરની આંતરિક ડિઝાઇનમાં સૌંદર્યલક્ષી અપીલ કેવી રીતે ઉમેરવી? સામાન્ય રીતે, મોટા ઘર માટે સજાવટના ઉચ્ચારો પસંદ કરવાનું સરળ છે કારણ કે ત્યાં વિવિધ વસ્તુઓ દર્શાવવા માટે પૂરતી જગ્યા છે. પરંતુ તમારે નાના ઘરની આંતરિક ડિઝાઇન સાથે સાવચેત